શારીરિક અને માનસિક થાક પ્રવર્તી શકે છે. સિંહ રાશિફળ: ગણેશજી કહે છે કે આ સમય આત્મ-ચિંતન અને આત્મ-નિરીક્ષણનો છે. તમે તમારી કુશળતા અને બુદ્ધિમત્તા દ્વારા કોઈપણ કાર્યમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકશો. ગ્રહોની સ્થિતિ તમને કોઈપણ પરિસ્થિતિનો ઉકેલ શોધવાની શક્તિ આપે છે. સમય પ્રમાણે તમારી વર્તણૂક બદલો. કોઈ વાતનો આગ્રહ રાખવો યોગ્ય રહેશે નહીં. આ સમયે આર્થિક સ્થિતિ સારી રહેશે નહીં. કાર્યક્ષેત્રમાં આજે કોઈ મહત્વપૂર્ણ સોદો મનને પ્રસન્ન કરી શકે છે. પતિ-પત્ની એકબીજાની લાગણીઓને યોગ્ય રીતે માન આપશે. આ સમયે દુખાવો અને માઈગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે. કન્યા રાશિફળ: ગણેશજી કહે છે કે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમારા ભાવિ લક્ષ્ય માટે સખત મહેનત અને યોગ્ય કાર્ય તમને સફળતા અપાવશે. પારિવારિક અને સામાજિક કાર્યોમાં પણ તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. દિવસની શરૂઆતમાં થોડો તણાવ રહેશે. રોકાણની પ્રવૃત્તિઓમાં ઉતાવળ ન કરો. બીજાની બાબતોમાં દખલ ન કરો, તેનાથી તમારા સ્વાભિમાન પર પણ નકારાત્મક અસર પડી શકે છે. વ્યવસાયિક કાર્યોમાં થોડી અડચણો આવી શકે છે. પરિવારના સભ્યો સાથે મળીને કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા કરી શકે છે. બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ પોતાની ખાસ કાળજી લેવી જોઈએ. તુલા રાશિફળ: ગણેશજી કહે છે કે તમને ફોન દ્વારા કોઈ મહત્વપૂર્ણ માહિતી મળશે. આજે અચાનક કોઈ અસંભવ કાર્ય પૂર્ણ થઈ શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારી રુચિ વધશે. તમને માનસિક રાહત મળી શકે છે. આઉટડોર પ્રવૃત્તિઓમાં વધુ સમય બગાડો નહીં. બહુ ચિંતા કરશો નહીં. લાગણીશીલ અને ઉદાર બનવાની સાથે વ્યવહારુ બનવું પણ જરૂરી છે. સાસરિયાં સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. વ્યવસાયની દ્રષ્ટિએ ગ્રહોની સ્થિતિ સામાન્ય રહી શકે છે. પ્રેમ સંબંધો વધુ ગાઢ બની શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે. વૃશ્ચિક રાશિફળ: ગણેશજી કહે છે કે ઘરની જાળવણીના કાર્યોમાં સારો સમય પસાર થશે. નાણાકીય બાબતો પર પણ ધ્યાન આપો. બીજા પર આધાર રાખવાને બદલે તમારી પોતાની મહેનત અને કાર્ય ક્ષમતા પર વિશ્વાસ રાખો. તે તમને યોગ્ય પરિણામ આપી શકે છે. બેદરકારી અને ઉતાવળના કાર્યોના પ્રતિકૂળ પરિણામો આવી શકે છે. તેથી તમારા કાર્યોને સુવ્યવસ્થિત અને વિચારપૂર્વક પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના અભ્યાસ અને કારકિર્દી પ્રત્યે વધુ ગંભીરતા દાખવવી જોઈએ. વ્યવસાયમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું યોગ્ય રહેશે. પતિ-પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતા જાળવી શકાય. સ્વાસ્થ્ય સારું રહી શકે છે. ધન રાશિફળ: ગણેશજી કહે છે કે આજે તમને ફોન અથવા ઈમેલ દ્વારા કોઈ મહત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થશે, જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નાણાકીય યોજનાઓ પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. જો કોઈ